સુરતના એક ફેશન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ચણીયા ચોળી બનાવવામાં આવી છે. જેને કારણે ખેલૈયાઓને ગરબાનાં આનંદની સાથે કોરોનાથી સુરક્ષા પણ મળી રહેશે. કીટમાં ચણીયા ચોળીની જેમ કરાયું ભરતકામ: કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારે નવરાત્રિનું આયોજન કરવાં પર પ્રતિબંધ મૂકયો છે. જો કે, ગુજરાતીઓ ગરબા માટે એટલા જ ઉત્સુક હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સુરતનાં એક ફેશન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ચણીયા ચોળી બનાવવામાં આવી છે. કીટમાં ચણીયા ચોળીની જેમ ભરતકામ કરવામાં આવ્યું છે. જેને બનાવવા માટે કુલ દસ દિવસનો સમય લાગ્યો છે. ડ્રોઈંગ, સ્કેચિંગ, ટિશિંગ તથા કટીંગમાં વધારે સમય લાગ્યો: ફેશન ઈન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિની શ્વેતા મેંદપરાએ જણાવતાં કહ્યું હતું કે, આ ચણીયા ચોળીને બનાવવાં માટે કુલ દસ દિવસથી મહેનત કરી રહ્યા હતા. ડ્રોઈંગ, સ્કેચિંગ, ટિશિંગ તથા કટીંગ કરવામાં સમય ગયો હતો. આ વર્ષે કોરોનાને લીધે ગુજરાતમાં સેફ્ટી માટે આ કીટ પહેરી શકે છે. ગુજરાતમાં સરકારે ગરબાની મંજુરી આપવી જોઈતી હતી. આ કીટ બધી બાજુથી બંધ છે. આ કીટ કોરોનાની સામે રક્ષણ આપે છે. આ કીટની સામાન્ય લોકો પણ ખરીદી કરી શકે છે. ગરબાનાં અનુભવની સાથે રક્ષણ પણ આપશે: ફેશન ઈન્સ્ટિટ્યૂટનાં અંકિતા ગોયલે જણાવતાં કહ્યું હતું કે, દર વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવે છે. એમાં ગુજરાતીઓ સૌથી વધુ ગરબા કરતા હોય છે. જો કે, આ વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને સેફ્ટીને લઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, સેફ્ટીને લઈને આ ચણીયા ચોળી બનાવવામાં આવી છે. આ ડ્રેસ ગરબાનાં અનુભવની સાથે કોરોના સામે સુરક્ષા પણ આપશે. આ ચણીયા ચોળી સીટા અપ્રુવ્ડ છે. આ કીટમાં ગરબાની જેમ વિવિધ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખેલૈયાઓના કેડિયાની ડિઝાઈન, ઘેરવાળી કીટની સાથે જોડી બનાવવામાં આવી છે.